આ પરિમાણો કઈ રીતે કામ કરે છે તેની સમજ તમને ગૂંચવણોમાંથી બહાર કાઢશે અને સારી રીતે જોખમ ગણાવશે. ઓક્ટોબર સુધીમાં જુઆન કાર્લોસ રિવેરા હવે પરવડી શકે તેમ નથી હોન્ડુરાસના કોપનમાં તેના ઘરે રહેવા માટે. "ડલ્લાસ મોર્નિંગ ન્યૂઝ" ના અહેવાલ મુજબ, એક ગેંગ તેની બાર્બર શોપમાંથી તેની કમાણીનો દસ ટકા હિસ્સો લઈ રહી હતી. તેની પત્નીને તેની પૂર્વ-કેળવણીની નોકરીમાં જતાં હુમલો કરવામાં આવ્યો હતો. અને તેઓ તેમની યુવાન પુત્રીની સુરક્ષાની ચિંતા કરતા હતા. તેઓ શું કરી શક્યા? ભાગી ગયા? બીજા દેશમાં આશ્રય મેળવયો? તેઓ તેમ કરવા માંગતા ન હતા. તેઓ ફક્ત તેમના દેશમાં સુરક્ષિત રીતે રહેવા। માંગતા હતા. પરંતુ તેમના વિકલ્પો મર્યાદિત હતા. તેથી તે મહિને, જુઆન કાર્લોસ તેના પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડ્યો જ્યારે તે લાંબી અને જોખમી યાત્રામાં સ્થળાંતર કરનારાઓના જૂથમાં જોડાયો હતો મધ્ય અમેરિકાથી નોકરી માટે એક કુટુંબના સભ્યએ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં તેના માટે ખુલ્લું છે. હમણાં સુધીમાં, આપણે જેની રાહ જોઇ રહી હતી તેનાથી બધા પરિચિત છીએ યુએસ-મેક્સિકો સરહદ પર. ત્યાં જતા લોકોને કડક અને સખત દંડ કરવામાં આવે છે. ગેરકાયદેસર રીતે ક્રોસ કરવા માટે ફોજદારી કાર્યવાહી. અમાનવીય અટકાયત. અને સૌથી ભયંકર રીતે, પરિવારોને અલગ પાડવું. હું તમને કહેવા માટે અહીં છું કે માત્ર આ સારવાર ખોટી નથી, તે બિનજરૂરી છે. આ માન્યતા કે ઓર્ડર જાળવવાનો એકમાત્ર રસ્તો અમાનવીય માધ્યમો સાથે છે અચોક્કસ છે. અને હકીકતમાં, વિપરીત સાચું છે. ફક્ત એક માનવીય સિસ્ટમ સરહદ પર વ્યવસ્થા બનાવશે. જ્યારે સલામત, વ્યવસ્થિત, યુનાઇટેડ સ્ટેટ્સની કાનૂની મુસાફરી ઉપલબ્ધ હોય, અસુરક્ષિત મુસાફરીને બહુ ઓછા લોકો પસંદ કરે છે, અવ્યવસ્થિત અથવા ગેરકાયદેસર. હવે, હું વિચારની પ્રશંસા કરું કાનૂની ઇમિગ્રેશન ફક્ત સરહદ સંકટને હલ કરી શકે છે થોડી કાલ્પનિક લાગે. પરંતુ અહીં એક સારા સમાચાર છે: અમે આ પહેલા પણ કર્યું છે. હું ઇમિગ્રેશન પર વર્ષોથી કામ કરું છું કેટો સંસ્થામાં વશિંગ્ટન ડીસીમાં અને અન્ય થિંક ટેન્ક્સ અને કોંગ્રેસના રિપબ્લિકન સભ્યના વરિષ્ઠ નીતિ સલાહકાર તરીકે, દ્વિપક્ષી ઇમિગ્રેશન રિફોર્મ માટે વાટાઘાટો. અને મેં જાતે જોયું છે અમેરિકાએ કેવી રીતે સરહદ પર માનવીય વ્યવસ્થાની સિસ્ટમ લાગુ કરી છે મેક્સિકો માટે. તેને અતિથિ કાર્યકર કહેવામાં આવે છે. અને અહીંથી વધુ સારા સમાચાર છે. અમે આ સફળતા મધ્ય અમેરિકા માટે નકલ કરી શકીએ છીએ. અલબત્ત, કેટલાક લોકો હજુ પણ સરહદ પર આશ્રય લેવાની જરૂર પડશે. પણ સમજવું કેટલું સફળ આ જુઆન કાર્લોસ જેવા ઇમિગ્રન્ટ્સ માટે હોઈ શકે છે, સમજો કે હમણાં સુધી, બોર્ડર પેટ્રોલ દ્વારા ધરપકડ કરાયેલ દરેક ઇમિગ્રન્ટ મેક્સીકન હતા. માં,